તમે વેપાર કરવા સમાન અભિગમ લઈ શકો છો અને ઘણા દેશો કરે છે. એક વિશાળ ટ્રેડિંગ પાર્ટનર પર આધાર રાખવાને બદલે તેઓ દરેકના મિત્રો બનવાનો પ્રયત્ન કરે છે કારણ કે તેઓ જાણે છે તેઓ આગાહી કરી શકતા નથી જે બજારો કદાચ અચાનક અસ્થિર બની જાય છે. તે વધુ સમય લે છે અને ખર્ચાળ છે આ બધા સોદાની વાટાઘાટો માટે પરંતુ તે મજબૂત છે કારણ કે તે સમગ્ર અર્થવ્યવસ્થાનો આંચકા સામે વધુ સારી રીતે બચાવ કરે છે. તે ખાસ કરીને નાના દેશો દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચના છે. તેઓ જાણે છે કે તેમની પાસે સામનો કરવા માટે ક્યારેય બજાર સ્નાયુ નહીં હોય. તેથી ઘણા મિત્રો હોવા તે વધુ સારું છે. પરંતુ જો તમે આમાંથી કોઈ સંસ્થામાં અટકી ગયા છો તે કાર્યક્ષમતાની દંતકથા દ્વારા હજી પણ કબજે કરવામાં આવી છે, તમે તેને બદલવાનું કેવી રીતે શરૂ કરશો? કેટલાક પ્રયોગો અજમાવી જુઓ. નેધરલેન્ડ્સમાં હોમ કેર નર્સિંગ સુપરમાર્કેટની જેમ ચલાવવામાં આવતી હતી પ્રમાણિત અને નિર્ધારિત કાર્ય મિનિટ માટે, સોમવારે નવ મિનિટ, બુધવારે સાત મિનિટ, શુક્રવારે આઠ મિનિટ. નર્સો તેને ધિક્કારતી હતી. તેથી તેમાંની એક જોસ ડી બ્લોકે એક પ્રયોગ કર્યો. દરેક દર્દી અલગ હોવાને કારણે અને અમને પાક્કી ખબર નથી કે તેઓને શેની જરૂર પડશે. શા માટે આપણે તે નક્કી કરવા નર્સો પર છોડતા નથી? બેદરકાર લાગે છે? જ્યારે મેં જોસને પૂછ્યું કે તેનાં પ્રયોગ વિશે શું આશ્ચર્ય થયું, તે માત્ર હસ્યો અને તેણે કહ્યું, "સારું, મને ખબર નહોતી તે આટલું સરળ હોઈ શકે આટલો મોટો સુધારો શોધવા માટે કારણ કે આ તે પ્રકારની વસ્તુ નથી જે તમે જાણી શકો છો અથવા આગાહી કરી શકો છો. તેથી હવે નર્સિંગનું આ સ્વરૂપ નેધરલેન્ડ્ઝમાં ફેલાયેલું છે અને વિશ્વભરમાં. પરંતુ દરેક નવા દેશમાં તે હજી પ્રયોગોથી શરૂ થાય છે કારણ કે દરેક સ્થાન થોડું અને અણધારી રીતે અલગ છે. બધા પ્રયોગો કામ કરતા નથી. જોસે ફાયર સર્વિસ માટે સમાન અભિગમ અજમાવ્યો અને મળ્યું કે તે કામ કરતું નથી કારણ કે સેવા ફક્ત ખૂબ કેન્દ્રિય છે. નિષ્ફળ પ્રયોગો અસમર્થ દેખાય છે પરંતુ તે ઘણી વાર એકમાત્ર રસ્તો હોય છે જે તમે શોધી શકો છો વાસ્તવિક દુનિયા કેવી રીતે કાર્ય કરે છે. તેથી હવે તે શિક્ષકોને આજમાવી રહ્યો છે. તેના પ્રયોગોમાં સર્જનાત્મકતાની જરૂર હોય છે અને થોડી બહાદુરી નહીં.